તેથી આ સંયોજન આપણને ઓછા ખર્ચે, ઉચ્ચ પ્રભાવ અને ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઇલેક્ટ્રોનિક્સ આપે છે, જેનો આપણે આજે આનંદ માણીએ છીએ. આ સંકલિત સર્કિટ્સ બનાવવા માટે, ટ્રાન્ઝિસ્ટર્સ શુદ્ધ સ્ફટિકીય સિલિકોન વેફર પર એક પછી એક સ્તરમાં બનાવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સર્કિટની દરેક નાની વિશેષતા સિલિકોન વેફરની સપાટી પર પ્રકાશ-સંવેદનશીલ સામગ્રીમાં પ્રકાશ દ્વારા પ્રક્ષેપિત અને નોંધવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકાશ-સંવેદનશીલ સામગ્રી દ્વારા નીચેના સ્તરો પર પેટર્ન બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વર્ષોથી નાટકીય રીતે સુધારો થયો છે અને તેના કારણે આજે આપણી પાસે વધુ શક્તિશાળી ઇલેક્ટ્રોનિક્સ છે. પરંતુ જેમ જેમ ટ્રાન્ઝિસ્ટરની વિશેષતાઓ નાની અને નાની થતી જાય છે, તેમ આપણે આ ઉત્પાદન તકનીકની ભૌતિક મર્યાદાઓની નજીક પહોંચી રહ્યા છીએ. સેમિકન્ડક્ટર ફેક્ટરીઓમાં આવી ડઝન જેટલી મશીનો હોય છે. તેથી લોકો ગંભીરતાથી પ્રશ્ન કરી રહ્યા છે: શું આ અભિગમ લાંબા ગાળે ટકાઉ છે? પરંતુ અમે માનીએ છીએ કે મોલેક્યુલર એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને અને નેનોસ્કેલ પરિણામો પરિમાણો સુધી આપણા ટ્રાન્ઝિસ્ટર્સને નાનું કરીને ચિપનું ઉત્પાદન કરવાની એકદમ અલગ અને વધુ અસરકારક રીત શોધી શકાય છે. મેં કહ્યું તે, પરંપરાગત ઉત્પાદન પ્રક્રિયામાં સર્કિટની દરેક નાની વિશેષતા લેવામાં આવે છે અને તેને સિલિકોન પર પ્રક્ષેપિત કરવામાં આવે છે. પરંતુ જો તમે એકીકૃત સર્કિટના ટ્રાન્ઝિસ્ટર એરેની રચનાને જુઓ, તો ઘણી વિશેષતાઓ લાખો વખત પુનરાવર્તિત થાય છે. તે ખૂબ જ સામયિક રચના છે. તેથી અમે અમારી વૈકલ્પિક ઉત્પાદન તકનીક માટે આ સામયિકતાનો લાભ લેવા માંગીએ છીએ. અમે એવી સ્વ-એસેમ્બલિંગ સામગ્રીનો ઉપયોગ કરવા માંગીએ છીએ, જે કુદરતી રીતે તે સામયિક રચનાઓ બનાવે, જ્યાં આપણને આપણા ટ્રાન્ઝિસ્ટર્સની જરૂર હોય. આ સામગ્રીનો ઉપયોગ કરીને, સામગ્રી પોતે જ બારીક પેટર્ન બનાવવાનું કામ કરે છે, જે પ્રક્ષેપણ તકનીકની મર્યાદાઓથી આગળ લઈ જઈ શકે છે. સ્વ-એસેમ્બલી પ્રકૃતિમાં ઘણી જુદી જુદી જગ્યાએ જોવા મળે છે, લિપિડ મેમ્બ્રેનથી લઈને કોષોની રચનાઓ સુધી. તેથી આપણે જાણીએ છીએ કે તે એક મજબૂત ઉકેલ હોઈ શકે છે. જો તે પ્રકૃતિ માટે પૂરતું સારું છે, તો તે આપણા માટે પણ પૂરતું સારું હોવું જોઈએ. તેથી આપણે પ્રકૃતિમાં જોવા મળતી આ મજબૂત સ્વ-એસેમ્બલી પ્રક્રિયાને લઈને તેનો ઉપયોગ સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના ઉત્પાદન માટે કરવા માંગીએ છીએ. આવી એક સ્વ-એસેમ્બલિંગ સામગ્રીને બ્લોક કોપોલિમર કહેવામાં આવે છે, જેની લંબાઈ થોડાક દશક નેનોમીટર જેટલી હોય છે. પરંતુ આ સાંકળો એકબીજાને પસંદ કરતી નથી. તેઓ એકબીજાને ભગાડે છે, તેલ અને પાણીની જેમ અથવા, કહો તો, મારા કિશોરવયના પુત્ર અને પુત્રીની જેમ. પરંતુ અમે તેમને બળજબરીથી એકસાથે બાંધીએ છીએ, જેથી સિસ્ટમમાં આંતરિક તણાવ ઊભો થાય અને તેઓ એકબીજાથી અલગ થવાનો પ્રયાસ કરે. જથ્થાબંધ સામગ્રીમાં આવા અબજો ઘટકો હોય છે, અને સમાન ઘટકો...